કીબોર્ડ એટલે શું? કીબોર્ડના પ્રકાર વગેરે વિશે જાણકારી કમ્પ્યુટર જેટલું પણ પાવરફુલ હોય પણ જો તેનો આપણે ઉપયોગ જ ન કરી શકીએ, તેને આપણે આદેશ જ ન આપી શકીએ, તે કમ્પ્યુટરને કોઈ ઓર્ડર ન આપી શકીએ તો તે કમ્પ્યુટર નકામું કહેવાય. કમ્પ્યુટરને આદેશ કે ઓર્ડર આપવા માટે આપણે ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીએ છે. ઈનપુટ ડિવાઇસની મદદથી આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છે અને તેમાં માઉસ અને કીબોર્ડ સૌથી મુખ્ય ઈનપુટ ડિવાઇસ છે. આજે આપણે કીબોર્ડ વિશે જાણીશું. કમ્પ્યુટરમાં કીબોર્ડ શું છે? કીબોર્ડના પ્રકાર, કીબોર્ડના ઉપયોગ વિશે વગેરે જાણીશું. કીબોર્ડ એટલે શું? –? કીબોર્ડ શું હોય છે? –? કીબોર્ડના પ્રકાર – કીબોર્ડના ઉપયોગ – કીબોર્ડમાં કેટલા બટન હોય છે? –? કીબોર્ડમાં ફંક્શન કી કેટલી હોય છે? –? કીબોર્ડ એટલે શું? –? કમ્પ્યુટરમાં કીબોર્ડ એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ લખી શકો છો અને કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરવા માટેનું મુખ્ય ઉપકરણ કી-બોર્ડ પણ છે. કીબોર્ડ એક ઈનપુટ ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના ડેટા દાખલ કરી શકો છો. કીબોર્ડનું ડિઝાઇન ટાઈપરાઈટર પરથી આવ્યું છે અને કીબોર્ડમાં એવી રીતે બટનને મૂકવામાં આવેલા છે જેથી એક કમ્પ્યૂટર યુઝર સરળતાથી કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના ડેટા દાખલ કરી શકે છે અને કમ્પ્યુટરને પોતાના આદેશ પણ આપી શકે છે. જો કમ્પ્યુટરમાં કીબોર્ડ ન હોય તો આપણે કમ્પ્યૂટરમાં ડેટા દાખલ કરી શકતા નથી. જેવી રીતે માઉસનો ઉપયોગ કરીને આપણે કમ્પ્યૂટરને પૂરી રીતે કંટ્રોલ કરી શકીએ છે તેવી જ રીતે આપણે કીબોર્ડની મદદ પણ કમ્પ્યુટરને કંટ્રોલ કરી શકીએ છે અને જ્યારે માઉસ ન હોય અથવા માઉસ ખરાબ થઈ જાય તો કીબોર્ડ મહત્વનું ભાગ ભજવે છે. કીબોર્ડ શું હોય છે? –? એક પ્રકારનું કીબોર્ડનું લેઆઉટ છે. કીબોર્ડમાં તમને જે ના બટન જોવા મળે છે તો તે બટન જે પ્રકારે ગોઠવવામાં આવે છે તે તેના અલગ-અલગ લેઆઉટ હોય છે. જેમ કે મોટા ભાગના કીબોર્ડમાં તમને કીબોર્ડના પ્રથમ અક્ષરો જોવા મળે છે તો તેના આધારે આવા કીબોર્ડને કીબોર્ડ કહેવાય છે. કીબોર્ડના પ્રકાર – આ એવા કીબોર્ડ હોય છે જે નરમ હોય છે અને તેને તમે ગોળ-ગોળ વાળીને પણ મૂકી શકાય છે. આ પ્રકારના કીબોર્ડ ફ્લેક્સિબલ મટિરિયલના બનાવેલા હોય છે જેના કારણે આ કીબોર્ડને આપણે ગોળ-ગોળ વાળી શકીએ છીએ. પોર્ટેબલ માટે આ કીબોર્ડ ખૂબ સારું છે જેને તમે સરળતાથી ઓછી જગ્યા રોકીને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો. આ કીબોર્ડ વોટરપ્રૂફ પણ હોય શકે છે. આ કીબોર્ડ તમારા